હવે આપણે તેમાં ધાણા, પાણી અને અન્ય શાકભાજી ઉમેરીને મિક્ષર મશીનમાં નાખીશું એટલે આને ઈનપુટ કહેવાય. હવે તે મિક્ષણ મશીનને આપણે ચાલુ કરીશું અને ત્યાર બાદ તેની અંદરનું ચકરડું ફરશે અને તેમાં પ્રક્રિયા ચાલુ થશે એટલે આને પ્રોસેસ કહીશું. હવે મશીન બંધ કર્યા બાદ તેમાંથી આપણે પિસાયેલું પરિણામ બહાર કાઢીશું એટલે આને આઉટપુટ કહેવાય છે. આવી રીતે કમ્પ્યુટરમાં ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કામ કરે છે. કમ્પ્યુટરમાં તમે કોઈ પણ ડેટા નાખો તો કમ્પ્યુટર તેના પર પ્રોસેસ કરીને પરિણામ લાવે છે. આશા છે કે તમને હવે ખબર પડી ગઈ હશે કે કમ્પ્યુટરમાં આ ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ શું હોય છે. જો તમારો હજુ કોઈ સવાલ હોય તો જરૂર કોમેન્ટમાં જણાવો જેથી અમે તમારી મદદ જરૂર કરીશું. અમારી અન્ય પોસ્ટ પણ વાંચો- સોફ્ટવેર એટલે શું? હાર્ડવેર એટલે શું? ફંક્શન કી શું છે? વન થી ટ્વેલ્વ બટનના ઉપયોગ શું છે? કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને દાખલ કરવા માટે કીબોર્ડ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, કીબોર્ડની મદદથી આપણે કોઈ પણ પ્રકારના શબ્દો, નંબર, નિશાન વગેરે કમ્પ્યુટરમાં લખી શકીએ છે. કમ્પ્યુટરમાં તમે સૌથી ઉપર બટનની શ્રેણી જરૂર જોઈ હશે એમાં વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ થી લઈને ટ્વેલ્વ સુધી બટન આપ્યા છે, આ બટનને ફંક્શન કી કહેવાય છે, જેમાં ટ્વેલ્વ ફંક્શન કી આપેલી છે. આ પોસ્ટમાં આપણે જાણીશું કે કમ્પ્યુટર કીબોર્ડમાં ફંક્શન કી શું હોય છે? તેનો ઉપયોગ શું છે? વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિક્સ, સેવન, એઈટ, નાઈન, ટેન, ઇલેવન, ટ્વેલ્વ આ બધી જ ફંક્શન કીનો ઉપયોગ આપણે જાણીશું. ફંક્શન કી શું છે? કમ્પ્યુટર કીબોર્ડમાં વન હંડ્રેડ થી વધારે બટનો આપેલા છે, એમાં વન, ટુ થી લઈ ટ્વેલ્વ સુધીના કીબોર્ડ બટનોને ફંક્શન કી કહેવાય છે. કીબોર્ડમાં ફંક્શન કીને કોઈ વિશેષ કાર્ય કરવા માટે વપરાય છે. કમ્પ્યુટરમાં ફંક્શન કીનો ઉપયોગ કરવા માટે ડાઇરેક્ટ વન, ટુ વગેરેનો ઉપયોગ થાય છે પણ લેપટોપ કીબોર્ડમાં તમને કી આપેલી હોય છે. આ કી સાથે વન, ટુ દબાવવાથી ફંક્શન કીના અલગ-અલગ ફંક્શન કામ કરે છે, પણ અમુક લેપટોપમાં દબાવ્યા વગર પણ ફંક્શન કી કામ કરે છે. લેપટોપમાં વન ફંક્શન કીના અલગ-અલગ ઉપયોગ હોય છે અને તેની માટે વિન્ડોઝ કી બટનની ડાબી બાજુ બટન આપેલું હોય છે, જેમ કે સાથે ટુ દબાવીશું તો લેપટોપ સ્ક્રીન બંધ થશે, આ રીતે કામ કરે છે. ચાલો આપણે ફંક્શન કીના ઉપયોગ જાણીએ. કમ્પ્યુટરમાં તમે કોઈ પણ પ્રોગ્રામ અથવા સોફ્ટવેર વાપરતા હોય તો તમે વન કી દબાવીને તેમાં તેનું હેલ્પ સેન્ટર ખોલી શકો છો. જેમ કે હું મારા કમ્પ્યુટરમાં ખોલુ અને મને વિશે કઈ ખબર ન હોય તો હું વન દબાવીશ એટલે તેનું હેલ્પ સેન્ટર ખૂલી જશે અને મને વર્ડપેડ વિશે જાણકારી મળશે.